બેલ પાત્રા પ્લાન્ટ માટે શું કરવું અને શું નહીં જો પોટમાં ડ્રેનેજ છિદ્રોહોય તો છોડને વધારે પાણીઆપો. ફૂલો પર ક્યારેય પાણીલગાવો કારણ કે તેનાથી ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે તમારા બેલ પાત્ર પ્લાન્ટને કલાકથી વધુ સૂર્યપ્રકાશ આપવા માટે તે આદર્શ છે છોડને વધારે પાણીઆપો બેલ પત્ર માટે આદર્શ તાપમાન થી -ડિગ્રી સેલ્સિયસ થી ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાવસ્યા પર બેલ પત્ર તોડશો નહીં. સૂર્યાસ્ત પછી ક્યારેય પણ બેલ પાત્રના પાન તોડવા નહીં બેલ પાત્ર કેવી રીતે પસંદ કરવું? જ્યારે તમે શિવલિંગ પર ચઢાવવા માટે પસંદ કરો છો ત્યારે તમારે હંમેશા ખાતરી કરવી જોઈએ કે બેલ પાત્ર નાં પાંદડામાં ઓછા પાંદડા હોય. સામાન્ય રીતે, ઘણા બેલ પાત્રના પાંદડાઓમાં પટ્ટાઓ અને ચક્ર હોય છે જેનો ઉપયોગ પૂજા માટેકરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે વજ્ર અને ચક્ર સાથે બેલપત્રના પાંદડા ખંડિત માનવામાં આવે છે. જ્યારે તમે શ્રાવણ સોમવાર પર બેલ પાત્રના પાન પસંદ કરી રહ્યા હોવ, ત્યારે તમારે ખાતરી કરવી જોઈએ કે પાંદડા ક્યાંયથી કપાઈ કે ફાટીન જાય. જો તમે ઘણા બેલ પાંદડા શોધી શકતા નથી, તો તમે ફક્ત એક માટે જઈ શકો છોજો કે, ગમે ત્યાંથી ફાટેલી વસ્તુઓને એકત્રિત કરવાનું ટાળો. ઉનાળામાં દરરોજ બેલ પાત્ર શા માટે લેવું જોઈએ? ઉનાળામાં દરરોજ બેલ પત્રાના પાન ખાવાથી તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. ઉનાળામાં દરરોજ બેલ પાત્રાના પાનનું સેવન કરવાનાકેટલાક મુખ્ય ફાયદા છેરોગપ્રતિકારક શક્તિ વધારે છે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે ગેસ, એસિડિટી અને અપચો જેવી પેટની સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે શરીરને ઠંડક આપે છે બેલ પાત્રા પ્લાન્ટનો સારાંશ હિંદુ ધાર્મિક વિધિઓમાં બેલ પત્ર અર્પણ કરવાનું વધુ ગહન મહત્વ ધરાવે છે. શિવપુરાણ અનુસાર,પાન ભગવાન શિવની પૂજા માટે ઉપયોગમાં લેવાતીપવિત્ર વસ્તુઓમાંથી એક છે. બેલ પાત્રનો ઉપયોગ ઘણા હિંદુ દેવતાઓની પૂજા કરવા માટે પણ થાય છે. આયુર્વેદમાં, બેલ પાત્રને ઉપચાર અને ઔષધીય ગુણધર્મોનું પાવરહાઉસ માનવામાં આવે છે. તમારી દિનચર્યામાં બેલ પાત્રના પાનનો સમાવેશ કરવાથી તમને રોગમુક્ત અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ મળશે. બેલ પત્રનું ધાર્મિક મહત્વ છે અને તે ભગવાન શિવને પ્રભાવિત કરવા માટે આપવામાં આવતું એક શુભ છે. ઇન્ડોર અને આઉટડોર પ્લાન્ટ્સ સાપ છોડ શમીનો છોડ એલોવેરા છોડ જેડ પ્લાન્ટ સ્પાઈડર પ્લાન્ટ ઇન્ડોર ફેંગ શુઇ છોડ+.. માટે સરળ રંગોળી ડિઝાઇનર ઘરે અજમાવવા માટે સરળ રંગોળી ડિઝાઇન ભારતમાં, લોકો તહેવારો દરમિયાન ઘણી પરંપરાઓ અને રિવાજોનું પાલન કરે છે. એક પ્રવેશદ્વારની બાજુમાં ફ્લોર પર રંગોળી બનાવી રહ્યો છે, જે ભારતીય લોક કલાની ડિઝાઇન છે.